એક કલાક. અને ત્યારથી મને સમજાયું કે હું આખી દુનિયામાં માત્ર સૌર ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. વૈજ્ઞાનિકો સોલાર પેનલ્સને વધુ કાર્યક્ષમ અને સસ્તી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેથી સૌર ઊર્જાની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. તેનું એક કારણ એ છે કે ચીને સોલાર પેનલ્સનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે. તેમની કાર્યક્ષમતામાં પણ ઘણો વધારો થયો છે. હવે તેમની કાર્યક્ષમતા ચુમ્માલીસ પોઇન્ટ પાંચ ટકા સુધી પહોંચી છે. પરંતુ જો તમે સોલાર સેલની છબી વિશે વિચારો, તો તે છેલ્લા સાઠ વર્ષથી લગભગ એકસરખી જ રહી છે. તે હજુ પણ એક એવી તકનીક છે, જે એક સ્થિર સપાટી જેવી લાગે છે. અને સોલાર સેલ્સને આપણા વાતાવરણમાં વધુ સારી રીતે એકીકૃત કરવાની જરૂર છે. આબોહવા પરિવર્તન આપણા સમયની સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે. અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે આપણે માત્ર સરકારો અને ઇજનેરો પર ભરોસો રાખી શકીએ નહીં. આપણે બધા પરિવર્તનમાં યોગદાન આપી શકીએ છીએ. જેમ મેં કહ્યું, હું એક ડિઝાઇનર છું અને હું ડિઝાઇન દ્વારા વસ્તુઓ બદલાવા માંગું છું. ચાલો, હું તમને મારા કામનાં કેટલાક ઉદાહરણો આપું. હું સ્વારરોવસ્કી નામની ક્રિસ્ટલ કંપની સાથે સહયોગ કરી રહ્યો છું. જો તમે ચોક્કસ રીતે ક્રિસ્ટલ કાપો, તો તમે પ્રકાશને વાળીને તેને ચોક્કસ જગ્યાએ દિશામાન કરી શકો છો. તેથી હું આ ક્રિસ્ટલ્સનો ઉપયોગ સોલાર પેનલ પર પ્રકાશ કેન્દ્રિત કરવા માટે કરું છું, જેથી તેની કાર્યક્ષમતા વધારી શકાય, પરંતુ સાથે સૌંદર્યશાસ્ત્રનો પણ ઉપયોગ થાય. તમે સોલાર ક્રિસ્ટલને પ્રકાશમાં રાખો છો, સોલાર સેલમાં બેટરી હોય છે, તેને ચાર્જિંગ સ્ટેશનમાં મૂકો છો અને પછી તમે આ ઝુમ્મરને વીજળીથી લગાવી ચલાવી શકો છો. એટલે કે, તમે શાબ્દિક રીતે ઘરની અંદર પ્રકાશ લાવી રહ્યા છો. જ્યારે મને ડાઇ-સેન્સિટાઇઝ્ડ સોલાર સેલ્સ નામની આ તકનીક વિશે જાણવા મળ્યું, ત્યારે હું સૌર ઊર્જાથી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગયો. આ રંગીન સોલાર સેલ્સ છે, જે છોડમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા પર આધારિત છે. શોડમાં રહેલું લીલું હરિતદ્રવ્ય પ્રકાશને ખાંડમાં રૂપાંતરિત કરે છે, જ્યારે આ સેલ્સ પ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે. સૌથી સારી વાત એ છે કે તેઓ ઘરની અંદર પણ કામ કરે છે. તેથી, રંગના સ્થાનના આધારે વિવિધ રંગોની કાર્યક્ષમતા અલગ હોય છે. ઉદાહરણ તરીકે, લાલ રંગ વાદળી કરતાં વધુ કાર્યક્ષમ છે. તેથી જ્યારે હું, એક ડિઝાઇનર તરીકે, આ સાંભળું છું કે રંગીન સપાટી, ખાસ કરીને રંગીન કાચની સપાટી, જેનો રંગ અત્યાર સુધી મુખ્યત્વે સૌંદર્ય માટે વપરાતો હતો, હવે તેને વધારાનું કાર્ય મળી શકે છે અને તે વીજળી ઉત્પન્ન કરી શકે છે, ત્યારે મને લાગે છે કે આપણે આ ટેક્નોલોજીને ક્યાં ક્યાં લાગુ કરી શકીએ...